પશ્ચિમના મિત્ર તરીકે હું આનાથી વ્યથિત છું. તેથી આજે મારું લક્ષ્ય પશ્ચિમમાં મદદ કરવાનો પ્રયાસ કરવાનો છે. પરંતુ મારે વાર્તા પહેલા શરૂ કરવી પડશે કેવી રીતે પશ્ચિમમાં વિશે વાત કરીને ખરેખર વિશ્વના બાકીના જાગે એકવાર ચાર્ટ જુઓ. એક વર્ષથી લઈને વર્ષ સુધી, વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા હંમેશાં ચીન અને ભારત હતા. તેથી ફક્ત છેલ્લા ટુ હન્ડ્રેડ વર્ષોમાં યુરોપ ઉપડ્યો ઉત્તર અમેરિકા પછી. વિશ્વના ઇતિહાસમાં છેલ્લા ટુ હન્ડ્રેડ વર્ષ થી કરવામાં આવી છે મુખ્ય ઐતિહાસિક સ્ખલન. બધા વિક્ષેપો કુદરતી અંત આવે છે અને આ તે છે જે આપણે જોઈ રહ્યા છીએ. અને જો તમે બીજા ચાર્ટ જુઓ, તમે જોશો કે કેટલી ઝડપથી અને કેટલી બળપૂર્વક ચીન અને ભારત પાછા આવી રહ્યા છે. મોટો પ્રશ્ન છે, "કોણે ચીન અને ભારતને જગાડ્યું?" આ પ્રશ્નનો એકમાત્ર પ્રામાણિક જવાબ તે પશ્ચિમી સંસ્કૃતિ હતી તેવું કર્યું. આપણે બધા જાણીએ છીએ કે પશ્ચિમ પ્રથમ હતું સફળતાપૂર્વક આધુનિકીકરણ કરવા માટે. શરૂઆતમાં તે તેની શક્તિનો ઉપયોગ કરે છે વસાહતીકરણ અને વિશ્વ પર વર્ચસ્વ. પરંતુ સમય જતાં, તે ભેટ શેર કરે છે પશ્ચિમી શાણપણ બાકીના વિશ્વ સાથે. ચાલો હું અહીં ઉમેરું છું વ્યક્તિગત રીતે લાભ થયો પશ્ચિમી ડહાપણની વહેંચણીથી. જ્યારે મારો જન્મ સિંગાપોરમાં થયો હતો, જે તે સમયે એક નબળી બ્રિટીશ વસાહત હતી, મેં અનુભવ કર્યો, ત્રણ ક્વાર્ટરની જેમ માનવતા પછી આત્યંતિક ગરીબી. ખરેખર, પ્રથમ દિવસે જ્યારે હું શાળાએ ગયો હતો છ વર્ષની ઉંમરે, મને એક વિશેષ ફીડિંગ પ્રોગ્રામમાં મૂકવામાં આવ્યો કારણ કે હું તકનીકી રીતે કુપોષિત હતો. હવે તમે જોઈ શકો છો કે હું પોષિત છું. પરંતુ મને સૌથી મોટી ભેટ મળી પશ્ચિમી શિક્ષણ હતું. હવે હું અંગત રીતે છું. આ મુસાફરી કરી ત્રીજી વિશ્વની ગરીબીમાંથી આરામદાયક મધ્યમવર્ગીય અસ્તિત્વ માટે. હું ખૂબ ખાતરી સાથે બોલી શકું છું પશ્ચિમી શાણપણની અસર વિશે અને પશ્ચિમીની વહેંચણી વિશ્વ સાથે. અને એક ખાસ ભેટ જે પશ્ચિમે વહેંચ્યું દલીલ કરવાની કળા હતી. અમર્ત્ય સેન જણાવ્યું હતું કે કેવી રીતે ઊંડે જડિત તે ભારતીય સંસ્કૃતિમાં છે. છતાં ત્યાં પણ કોઈ શંકા નથી કે તે પશ્ચિમ હતો તે તર્કની કળા વહન કરે છે ઘણી ઊંચી સ્તર પર. અને વૈજ્ઞાનિક ક્રાંતિના માધ્યમથી બોધ, ઔદ્યોગિક ક્રાંતિ, પશ્ચિમે ખરેખર તેને બળપૂર્વક ઉછેર્યું અને તે જ મહત્વનું આ વાપરવા માટે તેને હલ કરવા માટે લાગુ કર્યું ઘણી મોટી વ્યવહારુ સમસ્યાઓ.